હૈદરાબાદ નો ફેમસ યુટ્યુબર અરમાન મલિક ની બંને પત્નીઓ એક જ સાથે ગર્ભવતી બની છે. જેને લઈને અરમાન મલિક સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ રહ્યો છે. આ યુટ્યુબરની બે પત્નીઓ છે અને બંને હાલ એક સાથે જ ગર્ભવતી છે. ત્યારે તેણે પોતાની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા પ્રેગનેન્ટ હોવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા જ કરી હતી. મલિકે તેની પત્નીઓની તસવીરો સાથે ઈન્સ્ટાગ્રામ પર આ સારા સમાચાર શેર કર્યા છે. બંને પત્નીઓ સાથે પોઝ આપતાં, મલિકે તસવીરોને કેપ્શન આપ્યું, "મારો પરિવાર. " આ પોસ્ટથી ઘણા લોકો નારાજ થયા હતા. તેણે યુટ્યુબર અરમાન મલિક અને તેના પરિવારને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ સાથે જ ઘણાએ યુટ્યુબર અરમાન મલિકની મજાક ઉડાવી હતી. જ્યારે કેટલાકે દાવો કર્યો હતો કે તેને તેની પહેલી પત્ની કરતાં તેની બીજી પત્ની વધુ ગમે છે. એક વ્યક્તિએ કહ્યું, 'બેશરમ લોકો ત્રણ એ ત્રણ સાથે કેવી રીતે રહે છે, મિત્રો? તમને બંનેને એક જ મળ્યો? શરમ કરો. ' કેટલાક લોકોએ કહ્યું, 'મજા તમારી છે. ' સોશિયલ મીડિયા યુઝર્સ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. યુટ્યુબ વ્લોગર અરમાન મલિક તેના સોશિયલ મીડિયા પર ઘણી નફરતનો સામનો કરી રહ્યો છે. ફોટામાં, અરમાન, તેની પત્નીઓ કૃતિકા અને પાયલ સાથે નારંગી શર્ટમાં સજ્જ, સાથે જ તેની બે પત્નીઓ બેબી બમ્પને ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. ઘણા વપરાશકર્તાઓ વિવિધ કારણોસર ને ટ્રોલ કરે છે. ઘણા લોકોની ફરિયાદ છે કે તેણે પાયલ કરતાં તેની પત્ની કૃતિકા સાથે વધુ તસવીરો પોસ્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે, 'તમે હંમેશા કૃતિકાને વધુ અને પાયલને ઓછો પ્રેમ કરો છો, તે સ્પષ્ટ દેખાય છે. ' એક યુઝરે લખ્યું, 'તમે હંમેશા કૃતિકા સાથે ફોટો કેમ પાડો છો, પાયલ સાથે કેમ નહીં. ' એકે લખ્યું, 'લોકો આ મૂર્ખ લોકોને કેવી રીતે સમર્થન આપી શકે. ' આ દરમિયાન, બાકીના લોકોએ તેની મજાક ઉડાવી. જો કે, કેટલાક યુઝર્સે ત્રણ લોકોના પરિવારને અભિનંદન આપતા હાર્ટ ઇમોજી સાથે સકારાત્મક ટિપ્પણીઓ પણ કરી હતી. ત્યારથી અરમાન પોસ્ટ પર મર્યાદિત ટિપ્પણીઓ કરે છે.